જેમાંથી બે યુવકના કરુણ મોત નિપજ્યા હતા. બંને મૃતક પિતરાઈ ભાઈ હતા. એક યુવક ને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો, પરંતુ બીજા બે યુવક પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં એક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગે બે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા, ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને દીકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી અને જયરામ બિજલાજી રબારી તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સમગ્ર રબારી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહને કરજણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી છે. નદી એ નાહવા જતાં ઊંડા પાણીથી દૂર રહેવાની અપીલ. નર્મદા નદીમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર કરજણ પંથકને શોકમગ્ન બનાવી દીધો છે. સ્થાનિક લોકો દ્વારા નદી કે જળાશયોમાં નાહવા જતાં સમયે પૂરતી સાવચેતી રાખવા અને ઊંડા પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ફાયર સ્ટેશનના સર સૈનિક કિશનભાઈ કહારે જણાવ્યું હતું કે, "ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. તેમના કાકાનો દીકરો જયરામ તેમના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. જેથી બંને પિતરાઈ ભાઈઓ, તેમના મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા, અને બંને ડૂબી ગયા હતા. સાગર રબારી પરિણીત છે, અને પંદર દિવસ પહેલા જ સાગરની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. સાગરે પોતાનો પુત્રનું મોઢું પણ જોયું નથી, અને આ દુનિયાને અલવિદા કરી દીધી છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. બંનેના મૃતદેહોને ધાનેરા ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા છે. મોજ મજા કરવા ગયેલા યુવાનોને મોતની સજા મળી." ઉલ્લેખનીય છે કે, રણાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી છેલ્લા કેટલાક સમયથી પિકનિક સ્પોટ બની ગઈ છે. અનેક લોકો નર્મદા નદીમાં નાહવા માટે આવે છે. યુવાનો મોજ મજા કરવા માટે આવ્યા હતા પરંતુ તેમને મોતની સજા મળી ગઈ, ત્યારે નર્મદા નદીમાં રેતી ખનન સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. રેતી ખનનને કારણે નદીમાં ઊંડા ખાડા પડી જાય છે અને તેમાં યુવાનો ડૂબી જાય છે.